તે પછી તરત જ બતલીક-ટૂરકોટના પેટાવિભાગો, કે જે સિયાચીન ગ્લેસિયરના માર્ગ હતા, તેના પર ઘના આક્રમન કરીયા. પોઈન્ટ કે જે એનએચ એ નો નજદીકી દૃશ્ય આપતી હતી તેને જૂને ભારતીય ભૂમિ સેના દ્વારા સફળતાપૂર્વક પાછો કબજે કરી લેવાયું. જો કે મોટાભાગના મથકો જે હાઈવેની નજીકમાં આવેલા હતા તે મધ્ય જૂન સુધીમાં ખાલી કરી દેવાયા હતા, દ્વાસ નજીક હાઇવેના અમુક ભાગોમાં યુદ્ધના અંત સુધી છૂટાછવાયા ગોળીબાર નજારે પડતા હતા. એક વખત એનએચ એનો વિસ્તાર ચોખ્ખો થઈ ગયો, એટલે ભારતીય ભૂમિ સેનાને આક્રમણ સેનાને લાઈન ઓફ કંટ્રોલની બીજી બાજુ પાછા કાઢવાનું શરૂ કર્યું. તોલોલીંગનું યુદ્ધ , બીજા હુમલાઓ પૈકી એક, લડાઈ ધીમેધીમે ભારતના પક્ષમાં આવી હતી. તેમા છતાં, ઘણા મથકો જેમાં સખ્ત પ્રતિકાર થતો હતો, જેમાં ટાઈગર હીલ નો પણ સમાવેશ થયા છે, તે પછી યુદ્ધ સમયે મેળવી શકાય. કારન કે ઓપરેશન સંપૂર્નપને ચાલું હતું જેથી, મથકો જે લાઇન-ઓફ-સાઇટમાં હતા તેમાંથી ઘુસ્નખોરનો કાઢવા લગભગ તોપ બંદુકોને લાવવામાં આવી હતી. ઘના મહત્વના સ્થાનો પર, ના તો તોપ ના તો હવાઈ શકિતઓ હટાડવામાં મદદરૂપ થઈ શકતી, દૂરના મથકો પન પાકિસ્તાનના સૈનિકો દ્વારા બેનેલી જે નજારાની પહોંચની મર્યાદાની બહાર હતા. જુલાઈ એ, વોશીંકનાની સલાહ મુજબ, શરીફે પાકિસ્તાનની ટુકડીઓને પાછી બોલાવવાનું નક્કી કર્યું, મોટાભાગની લડાઈ ધીરે ધીરે થંભી ગઈ, પરંતુ એલઓસીની ભારતની બાજુએ થોડીક પાકિસ્તાનની સેના તેમની સ્થિતિમાં જ રહી. ઉપરાંત, યુનાઈટેડ જીહાદ કાઉન્સલિએ પાકિસ્તાનની લડાઈ ચાલુ રાખવાના નિર્ણયના બદલે, પાછા હટવાની યોજનાને નકારી કાઢી. જુલાઈના છેલ્લા અઠવાડિયાઓમાં ભારતીય ભૂમિ સેનાએ તેના અંતિમ હુમલા શરૂ કર્યા, તરત જ દ્રાસના પેટાવિભાગો પાકિસ્તાનની સેના હટાવીને ચોખ્ખા થઈ ગયા, અને જુલાઈએ યુદ્ધ બંધ થયું. ત્યારથી જ તે દિવસને ભારતમાં કારગીલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવ્યો.